ખાધેલા ખોરાકને સંપૂર્ણ રીતે પચાવવા માટે શરીરને લગભગ બાર કલાકનો સમય લાગે છે. તમારી ગંધની સંવેદના તમારી સ્વાદની ભાવના કરતાં લગભગ ગણી વધુ સંવેદનશીલ છે. તમારી આંખો એક મિનિટમાં લગભગ વીસ વખત ઝબકે છે. એટલે કે વર્ષમાં દસ લાખથી વધુ વખત! ઇયરવેક્સ વાસ્તવમાં એક પ્રકારનો પરસેવો છે! જીભ લગભગ આઠહજાર સ્વાદની કળીઓથી ઢંકાયેલી છે, દરેકમાં સો કોષો છે જે તમને તમારા ખોરાકનો સ્વાદ લેવામાં મદદ કરે છે! તમે તમારા જીવનકાળમાં લગભગ ચાલીસહજાર લિટર થૂંકનું ઉત્પાદન કરો છો. અથવા તેને બીજી રીતે કહીએ તો, લગભગ પાંચસો બાથટબ ભરવા માટે પૂરતું થૂંકવું. યાક! સરેરાશ નાક દરરોજ લગભગ એક કપ અનુનાસિક લાળ ઉત્પન્ન કરે છે! જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમે જ્યારે પથારીમાં ગયા હતા તેના કરતા તમે લગભગ એક સેમી ઉંચા છો. આનું કારણ એ છે કે તમારા હાડકાં વચ્ચેની કોમલાસ્થિ ઘસાઈ જાય છે અને દિવસ દરમિયાન સંકુચિત થઈ જાય છે. જો તમે દિવસમાં બાર કલાક ચાલો છો, તો વિશ્વભરમાં ચાલવામાં સરેરાશ વ્યક્તિને છસોનેવું દિવસ લાગશે. એકમાત્ર સ્નાયુ જે ક્યારેય થાકતો નથી તે હૃદય છે. તમારી ત્વચાની સમગ્ર સપાટી દર મહિને બદલાય છે, જેનો અર્થ છે કે તમારા જીવનમાં લગભગ એક હજાર વિવિધ પ્રકારની ત્વચા છે! તેમના જીવનકાળ દરમિયાન, મોટાભાગના લોકો સરેરાશ એક વર્ષ શૌચાલયમાં બેસીને વિતાવે છે. સરેરાશ, તમે પાર્ટી બલૂન ભરવા માટે એક દિવસમાં પૂરતો ગેસ છોડો છો. નોંધ: અમુક વર્ષો બાદ, ગુજરાતી કેલેન્ડરમાં અધિક માસ હોય છે. આ અધિક માસને મલમાસ પણ કહેવાય છે. અંગ્રેજી કેલેન્ડરમાં પણ બાર મહિના હોય છે. આ મહિનાઓના નામ મોટાભાગે રોમન દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. મી. ની છે. સ્નો લેપર્ડના પાછલા પગલાના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે. જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા. જંગલમાં સિંહનું અયુષ્ય બાર થી પંદર વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય પચીસ વર્ષનું હોય છે. પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા પચીસ મિનિટ અને સત્તર સેકંડ લાગે છે. પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત દસ ટકા જ જીવીત રહે છે. દરેક સેકંડે લગભગ સો વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે. શું આ તમે જાણો છો? છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે, એટલે લોકો છીંક આવતા 'ખમ્મા' અથવા 'શ્રીજી બાવા' એવું કાંઈક બોલે છે. શરીરમાં રક્તકણો લાલ કણો વીસ જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે. ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.